તેમને ભાગવું પડ્યું. તેમના ત્રણ સાથી ઘાયલ થયા છે, એમને ગામમાં છોડીને ભાગ્યા છે. આ ઉત્તેજિત સમાચાર સાંભળી મેજર નેગી ખબરી સાથે એ ગામ જવા રવાના થયા. ઘાયલ માઓવાદીઓને ઉઠાવી છાવણી પર લાવ્યા, ત્યાં બધું વેરવિખેર પડ્યું હતું. રસોઇકરનાર સૈનિક અને બીજા સૈનિક ઘાયલ થયા હતા. સુરીન્દર ગાયબ હતો. મેજર નેગીને સમજાઈ ગયું, આ કોણે કર્યું છે? ઘાયલ સૈનિકોને સારવાર કરી, પેલા ત્રણની જવાબદારી તેમને સોંપી, એ પાંચ સૈનિકોને સાથે જંગલ તરફ ગયો. માઓવાદીઓએ સુરીન્દરને ઝાડ સાથે બાંધી દીધો, તેના શરીર પર ચપ્પુ વડે ઘાવ કર્યાં. ઘાવ પર શરાબ અને નમક ભભરાવી તેને હેરાન કરતા હતા. આ બધાથી તેને ખૂબ પીડા થતાં એ બૂમો પાડતો, તરફડટો છૂટવા. તેના દર્દ ભરેલ આક્રંદથી તેમને ખુશી થતી હતી. મેજર નેગી, ચીસોના અવાજથી આ દિશામાં આગળ વધતા હતા. ચીસનો અવાજ નજીક સાંભળતા સાથીઓને સાબદા રહેવા કહ્યું. એ છ સાથી હતા, બે-બે ના જૂથમાં વહેંચાય ગયા. બધાને ઓર્ડર આપતા બોલ્યા, "જબ તક મૈં ઈશારા ના કરું કોઇ ગોંલિયા નહીં ચલાયેગા. હમારા સાથી ઉનકે કબ્જે મૈં હૈ. ઉસકી જાન કો ખતરા હૈ, વો મદદ કે લિયે તડપ રહા." મેજરની વાતને સંમતિ આપી બધા ઝાડની ઓથમાં સંતાયા. સુરીન્દરની ચીસો, તેની તડપ જોઇ બધા એને છોડાવવા તરસી રહ્યા. અચાનક, સંચાર થયો. કોઇ કાંઈ સમજે એ પહેલાં, ઝાડના વેલા પકડી કાળી આકૃતિઓ ઊભરી આવી. અણધાર્યા હુમલાથી, કોઇ કાંઈ વિચારે એ કોણ છે? ચારેબાજુથી બાણોની વર્ષા શરૂ થઈ ગઈ. અચાનક હુમલો થતાં, માઓવાદીઓને સામનો કરવાનો સમય ના મળ્યો. તેમના સાથીઓને ઘાયલ થતાં નિહાળી તેમને ત્યાં છોડી ભાગી ગયા. એક આકૃતિ, સુરીન્દર પાસે આવી. તે ગભરાયો, આ મને મારી નાખશે. તેના આશ્વર્ય વચ્ચે, તેને બંધન મુક્ત કરી ઈશારાથી જવાનું કહ્યું. બધી આકૃતિઓ ગાયબ થઇ. મેજર નેગી વિચારતા રહી ગયા. સાથીઓ દોડીને સુરીન્દર પાસે પહોંચ્યા. તેને ઉંચકીને છાવણીમાં લાવ્યા. "સાહેબજી, સુરીન્દર કે શરીરમેં બહોત પીડા હો રહી હૈ. ઉસે અસ્પતાલ ભેજના પડેગા, વર્ના મર જાયેગા." સૈનિકની વાતથી મેજરની તંદ્રા તૂટી. શહેર જવા માટે બે સૈનિકો સાથે સુરીન્દરને મોકલી આપ્યો. તેના માન માનસપાટ પર એ કાળી આકૃતિઓની ચપળતા, સ્ફૂર્તિ તરવરી રહ્યા હતા. કોણ છે એ લોકો? પોતાના ઘાયલ સાથીઓને મેજરે બંદી બનાવીને રાખ્યા છે, તેમને છોડાવવા તેમણે છાવણીને ઘેરામાં લીધી. ચારેબાજુ ગોળીઓની રમઝટ બોલવા લાગી. મેજર પાસે સાથી ઓછા હતા, અને ગોળીઓનો નવો જથ્થો તેમને પહોંચ્યો નહોતો. પીછેહટ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હવે. સાથીઓને ઓર્ડર આપે ત્યાં તેમની રક્ષા માટે ચારેબાજુથી બાણોના વરસાદ થયો. ગોળીઓના અવાજ થંભી